ઔર હમારી ઝમીન ખોદોગે તો ઉસમેં સે હમારે દુશ્મનો કે સિર મિલેંગે. પૃથ્વીરાજ, બેતાજ બાદશાહ તો ભારી ન હો, વો દુશ્મની હી ક્યા. બ્રિગેડિયસ સૂર્યદેવસિંહ, તિરંગા મિનિસ્ટર સાહબ, ગરમ પાની સે ઘર નહીં જલાએ જાતે. હમારે ઇરાદો સે ટકરાઓગે તો સર ફોડ લોગે. જગમોહન આઝાદ, પુલિસ પબ્લિક બચ્ચે બહાદુર સિંહ, કૃષ્ણ પ્રસાદ મૌત કી ડાયરી મેં એક બાર જિસકા નામ લિખ દેતા હૈ, ઉસે યમરાજ ભી નહીં મિટા સકતા. કૃષ્ણ પ્રસાદ, જંગ બાઝ આપકે લિએ મેં ઝહર કો દૂધ કી તરહ પી સકતા હૂં, લેકિન અપને ખૂન મેં આપકે લિએ દુશ્મની કે કીડે નહીં પાલ સકતા. સમદ ખાન, રાજ તિલક હુકમ ઔર ફર્ઝ મેં હમેશા જંગ હોતી રહી હૈ. યાદ રહે મહા સિંહ, ઇસ મુલ્ક પર જહાં બાદશાહોને હુકુમત કી હૈ વહાં ગુલામોને ભી કી હૈ. જહાં બહદુરોને હુકુમત કી હૈ વહાં ભગૌડોને ભી કી હૈ. જહાં શરીફો ને ભી કી હૈ વહાં ચોર ઔર લુટેરોને ભી કી હૈ. જગમોહન આઝાદ, પુલિસ પબ્લિક રાજસ્થાન મેં હમારી ભી ઝમીનાત હૈ ઔર તુમ્હારી હૈસિયત હે કી ઝમીનદાર હર સુબહ હમે સલામ કરને, હમારી હવેલી પર આતે રહેતે હૈ. ધોધમાર વરસાદમાં ઘરે બનાવવાની સિંગોડાની પકોડી. ભજીયાને પણ ભૂલી જશો. સિંગોડાની પકોડીની રેસિપી: બહુ ઓછા પ્રકારનાં લોટ છે કે જેમકે વ્રત તથા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. જેમ કે રાજગરાનો લોટ, બકવ્હીટનો લોટ અને સિંગોડા અને સિંગોડાનો લોટ. આજે અમે ભારતનાં ઉત્તરી વિસ્તારોનાં સૌથી હિટ વ્રતમાં સ્નૅક્સ તરીકે ખવાતી સિંગોડાની પકોડીઓની રેસિપી આપની સાથે શૅર કરવા જઈ રહ્યાં છીએ. આ પકોડીઓને સિંગોડાનાં લોટમાં બટાકા અને વ્રત વાળા મસાલાઓ નાંખી ડીપ ફ્રાય કરવામાં આવે છે. નવરાત્રિ, એકાદશી કે અન્ય કોઈ પણ વ્રત દરમિયાન આ પકોડીઓનો સ્વાદ ફરાળી ચટણી સાથે બહુ જામે છે. કારણ કે સિંગોડાનો લોટ ગ્લૂટન ફ્રી હોય છે, તેથી બાઇટીંગ માટે તેમાં બટાકા અને અરબી નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે-સાથે તેમનાંથી સ્વાદ પણ વધે છે. જો આ નવરાત્રિમાં આપ ગરમ ચા સાથે કુરકુરી પકોડીઓને ચાખવા માંગો છો, તો આજે અમે આપની સાથે શૅર કરી રહ્યા છીએ આ પકોડીઓની રેસિપી, તે પણ સ્ટેપ બાય સ્ટેપ. સાથે જ ઘેર બેઠા આસાનીથી બનાવવા માટે આ રેસિપીનો વીડિયો અને પોટ્સ પણ આપની સાથે શૅર કરી રહ્યા છીએ કે જેથી આપ વ્રત દરમિયાન તેમને આરામથી ચપટીમાં બનાવી શકો. સિંગોડાની પકોડીની રેસિપી બે બાફેલા બટાકા,મીઠું – સિંધવ મીઠું, સ્વાદ મુજબ કોથમીર – દોઢ કપ લીલા મરચા , બે ટી સ્પૂન સિંગોડાનો લોટ , એક કપ પાણી , સવા કપ તેલ , તળવા માટે એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.